અને જ્યારે અમારા પ્રયોગો અને અમારું સંશોધન આગળ વધી રહ્યાં હતાં, ત્યારે એક ખૂબ મોટી કંપની અને જાણીતી બ્રાન્ડ અમારી પાસે આવી અને કહ્યું, “અમે આ વિચારને તમારી સાથે આગળ લઈ જવા માંગીએ છીએ અને તેને ખૂબ મોટા અને ઉજવાયેલા સ્વરૂપમાં રજૂ કરવા માંગીએ છીએ.” તેમણે કહ્યું, “ચાલો, તમે બનાવેલી આ શાહીનો ઉપયોગ કરીને પ્રદૂષણને પકડીને તેને કલામાં પરિવર્તિત કરતું એક વૈશ્વિક કલા અભિયાન કરીએ.” હવે હું તમને બતાવું કે આ શાહી કેવી દેખાય છે. આ પેન કારના પ્રદૂષણને રિસાયકલ કરીને બનાવવામાં આવી છે. એક પેનમાં આપણે જે પ્રદૂષણની વાત કરી રહ્યા છીએ તે લગભગ ચાલીસથી પચાસ મિનિટના કાર પ્રદૂષણ જેટલું છે, એટલે કે પેટ્રી ડિશમાં મેં તમને બતાવેલા એ જ પ્રદૂષણમાંથી બનાવેલી છે. આ શાહી ખૂબ જ ઘેરી કાળી છે અને તેનાથી તમે લખી શકો છો. તેથી હવે હું તેની સાથે લખવા જઈ રહ્યો છું. આ ખૂબ જ ઘેરી કાળી શાહી છે, જે એ જ પ્રદૂષણમાંથી બનાવવામાં આવી છે. લેબોરેટરી સ્તરના સંશોધન પર ઘણું કામ કર્યા પછી, અમને એક મોટી કોર્પોરેશન તરફથી આ વિચારને મોટા પાયે અજમાવવાની તક મળી. તે એક મોટી બ્રાન્ડ સાથેનો પ્રયોગ બન્યો અને અમે બે વાર વિચાર્યું પણ નહીં. અમે કહ્યું, “ચાલો, આગળ વધીએ.” લેબોરેટરીમાં શોધ કરવી એક બાબત છે, પરંતુ તે વિચારોને લઈને વાસ્તવિક દુનિયામાં અમલમાં મૂકવા એ સંપૂર્ણપણે બીજી બાબત છે. પ્રારંભિક તબક્કામાં, અમારે અમારા પોતાના ઘરો અને રસોડાંનો ઉપયોગ શાહી બનાવવાની ફેક્ટરીઓ તરીકે કરવો પડ્યો. અમારા પોતાના શયનખંડો અને વસવાટના ઓરડાઓ આ શાહી બનાવવા માટેની પ્રથમ એસેમ્બલી લાઇન બની ગયા. આ મારા સાથી નિખિલનું પોતાનું બેડરૂમ છે, જેનો ઉપયોગ વિશ્વભરના કલાકારોને શાહીનો પુરવઠો પહોંચાડવા માટે કરવામાં આવતો હતો, જેથી તેઓ એર-ઇંકનો ઉપયોગ કરીને ચિત્રો બનાવી શકે. ત્યારબાદ આ શાહી હવાઈ માર્ગે વિશ્વભરમાં મોકલવામાં આવતી હતી, જેથી કલાકારો તેનો ઉપયોગ કરી શકે. ટૂંક સમયમાં, અમે જોયું કે વિશ્વભરના હજારો કલાકારોએ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને આ પ્રકારની કલાકૃતિઓ ઉભરવા લાગી. હજારો કાળા અને સફેદ, પ્રદૂષણમાંથી બનાવેલી કલાકૃતિઓ વિશ્વભરમાં દેખાવા લાગી. અને મારો વિશ્વાસ કરો, વૈજ્ઞાનિકો, ઇજનેરો અને શોધકર્તાઓની એક ટીમ માટે પોતાના કામના ઉત્પાદનનો ઉપયોગ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ કલાકારો કરી રહ્યા છે તેનાથી વધુ સંતોષકારક બીજું કંઈ નહોતું. આ “ઇન્ફેક્શિયસ” મેગેઝિનનું કવર છે, જે ગયા વર્ષે પ્રકાશિત થયું હતું અને એ જ શાહીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું, જેને અમે અમારી લેબોરેટરીમાં વિકસાવી હતી. આ બ્રિટિશ કલાકાર ક્રિશ્ચિયન ફ્યુરનું એક પ્રખ્યાત પેઇન્ટિંગ છે, જે તેમણે ધ રોલિંગ સ્ટોન્સના “પેઇન્ટ ઇટ બ્લેક” ગીતથી પ્રેરાઈને બનાવ્યું હતું. હવે, આ પેન અને આ શાહીમાં માત્ર લોકપ્રિય...